ખનિજો અને વિટામિન્સ શરીરના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે. છોડ ત્રણેય દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે, જેને આયુર્વેદ વાત, પિત્ત અને કફ તરીકે વ્યાખ્યાયિત કરે છે. વધુમાં, બેલ પાત્રનું દરરોજ સેવન કરી શકાય છે, જે તમને હાયપરટેન્શન, હૃદયની સમસ્યાઓ અને કોલેસ્ટ્રોલ જેવા જીવનશૈલી રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરશે. અગાઉ, કાચા બેલને હળદર અને ઘી સાથે ભેળવીને ફ્રેક્ચર થયેલા હાડકાં પર લગાવવામાં આવતું હતું. બેલ પાત્રા છોડના ફાયદા બેલ પાત્રા વૃક્ષની ચામડી, મૂળ, ફળો અને પાંદડાંનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે. પેઢામાંથી લોહી નીકળવું, અસ્થમા, કમળો, મરડો, એનિમિયા અને અન્ય ઘણી બીમારીઓ પવિત્ર વૃક્ષથી મટાડી શકાય છે. બેલ ફળમાં રહેલું ટેનીન કોલેરા અને ઝાડાની સારવારમાં મદદ કરે છે અને ફળના સૂકા પાવડરનો ઉપયોગ ક્રોનિક ઝાડાની સારવાર માટે થાય છે. છોડમાં એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણધર્મો છે જે તમને શરીર પરના ઘણા ચેપનો ઉપચાર કરવામાં મદદ કરશે. બેલના પાન અત્યંત રોગનિવારક છે કારણ કે તેનો અર્ક તમને કોલેસ્ટ્રોલ પર સારો નિયંત્રણ રાખવામાં મદદ કરી શકે છે. શરદી અને અસ્થમા જેવા શ્વસન સંબંધી રોગો બેલ પત્રમાંથી કાઢેલા તેલથી મટાડી શકાય છે. ઘી અને ફાટેલા બેલ ફળનું મિશ્રણ રોજિંદા આહારમાં ઉમેરવાથી હૃદયના વિવિધ રોગોથી બચી શકાય છે. બેલ ફળ કબજિયાત મટાડે છે. મીઠું અને કાળા મરી સાથે બેલ ફળનો પલ્પ આંતરડામાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે. તેની ઉચ્ચ રેચક સામગ્રીને લીધે, બેલ પાત્રા રક્ત ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. બેલ પાત્રાનો ઉપયોગ તમને ત્વચા પર ફોલ્લીઓ અને વધુ પડતો પરસેવો દૂર કરવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, તે શરીરની ગંધને દૂર કરવામાં મદદ કરે છે. બેલ પાત્રાનો રસ પીવાથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થશે. તે શુક્ષ વાળ અને ખરબચડાને સરળ બનાવશે. બેલ પાત્રા ત્વચાના ફોલ્લીઓને દૂર કરવામાં મદદ કરે છે જે દવાની આડઅસરોને કારણે દેખાઈ શકે છે. બેલ પાત્રાના ફળમાં ટેનીનની હાજરી પાંડુરોગ અને હેમોરહોઇડ્સની અસરકારક સારવારમાં પણ મદદ કરે છે. પ્રાચીન દિવસોમાં,સમસ્યાઓના ઉપચાર માટે અપાક બેલ પાત્રના ફળનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાયલ પાત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ સંયોજનો પણ હોવાથી તે ગેસ્ટ્રિક અલ્સર સામે લડવામાં મદદ પણ મદદ કરે છે. અલ્સર પેટમાં એસિડિક સ્તરના અસંતુલનને કારણે થાય છે. બાલ પાત્રા ફળનો અર્ક પણ એન્ટિમાઇક્રોબાયલ ફંક્શન્સ હોવાનું સાબિત થયું છે. કેટલાક સંશોધકોએ તારણ કાઢ્યું છે કે તે શરીરના ઘણા ચેપની સારવારમાં મદદ કરે છે. શરીરમાં વિટામિન સીની ઉણપથી સ્કર્વી રોગ થઈ શકે છે. રોગ વ્યક્તિની રક્તવાહિનીઓને અસર કરે છે પરંતુ તેની સારવાર બેલ વડે કરી